તમારે તમારા ડેસ્ક માટે ક્લાસિક ગ્લેમ પણ ચૂકશો નહીં. રમતિયાળ સ્પર્શ માટે તમે તેને તમારા લિવિંગ રૂમ અથવા બેડરૂમમાં મૂકી શકો છો. નોર્ડિક અને ઔદ્યોગિક અભ્યાસ લેમ્પ ડિઝાઇન. ઔદ્યોગિક અભ્યાસ લેમ્પ સાથે વિન્ટેજ પંચ ઉમેરો. આકર્ષક ટેબલ લેમ્પ આધુનિક અને નોર્ડિક અભિગમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે તમારા ઘરને વિન્ટેજ અનુભવ આપે છે. ટ્યુબ્યુલર મેટલ બોડી અને એકદમ બલ્બ દર્શાવતા, લેમ્પ ઔદ્યોગિક દેખાવ ધરાવે છે. જ્યારે દીવાનો ખુલ્લું દેખાવ આંખ માટે આનંદદાયક છે, તે પુષ્કળ પ્રકાશની ખાતરી આપે છે અને જગ્યાને સુંદર રીતે તેજસ્વી બનાવે છે. વાંસ સ્ટડી લેમ્પ ડિઝાઇન. વાંસ અને રતન ટેબલ લેમ્પ હૂંફ અને રચનાને ઇન્જેક્ટ કરે છે. લેમ્પની આસપાસ ફરતી કુદરતી સામગ્રી એકદમ ક્લાસિક લાગે છે અને તે હળવા અને હવાદાર હોય છે. તેઓ વાતાવરણમાં હૂંફ લાવે છે અને કાર્યસ્થળને યોગ્ય પ્રકાશ પ્રદાન કરે છે. આના જેવો સુંદર વાંસનો ટેબલ લેમ્પ સેટિંગમાં બોહો-ચીક શૈલીનો સંપૂર્ણ ડોઝ ઉમેરે છે. વધુમાં, સરળ કોકૂન આકાર લેમ્પને તમામ પ્રકારની સજાવટ થીમ્સ સાથે સમાયોજિત કરે છે. ક્લિપ-પ્રકારનો લાંબા હાથવાળો ફોલ્ડિંગ લેમ્પ, યુએસબી ઇન્ટરફેસ સાથેનો લાંબો હાથવાળો ફોલ્ડિંગ લેમ્પ, નાના અભ્યાસ કોષ્ટકો માટે આદર્શ અને બહુમુખી વિકલ્પ છે. આ આકર્ષક, ક્લિપ-પ્રકારનો ફોલ્ડિંગ લેમ્પ તમારા ઘરના આધુનિક આંતરિકમાં ઉમેરો કરે છે. ફીચર-પેક્ડ ડેસ્ક લેમ્પમાં ચાર્જિંગ માટે અનુકૂળ યુએસબી ઇન્ટરફેસ છે અને તે એડજસ્ટેબલ છે, જે તમને પ્રકાશની તેજ અને તાપમાનને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. ઉપરાંત, એલ્યુમિનિયમનું બાંધકામ લેમ્પની ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. લાકડાના સ્વિંગ આર્મ સાથે લેમ્પનો અભ્યાસ કરો. સ્વિંગ આર્મ ડિઝાઇન સ્ટડી લેમ્પમાં એક નવીન સ્પર્શ ઉમેરે છે. સ્ટડી લેમ્પને વધુ રસપ્રદ બનાવે છે તે તેનું સ્વિંગ આર્મ છે, જે વધુ ધ્યાન કેન્દ્રિત અને આંખની સંભાળ રાખનારી ગ્લોની ખાતરી આપે છે. લેમ્પમાં લવચીક ગોઠવણ બિંદુઓ છે જે તમને સંપૂર્ણ લાઇટિંગ એંગલ સેટ કરવાની મંજૂરી આપે છે. મૂળભૂત ટ્રિપલ પીવોટ ડિઝાઇન સાથે, લેમ્પ વધુ સમકાલીન લાગે છે અને અભ્યાસ અને કાર્ય માટે આદર્શ પ્રકાશની પસંદગી બનાવે છે. રેટ્રો ગ્લાસ ફ્લોરલ સ્ટડી લેમ્પ ડિઝાઇન. ખૂબસૂરત ફ્લોરલ શેડ અને એન્ટિક મેટલ ફિનિશ તેને ક્લાસિક પીસ બનાવે છે. ક્લાસિક ટેબલ લેમ્પનો ઉપયોગ કરીને તમારી હોમ ઑફિસને ગરમ લાઇટિંગથી